જો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇચ્છે છે કે પક્ષ શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરેથી નારાજ ન થાય. એક તરફ રાજ્યમાં રાજકીય પક્ષમાં ભંગાણ ખુલીને સામે આવી ગયું છે. ત્યારે કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નાના પટોલે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્ય લીડરશીપ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરનારા નેતાઓના દિલ્હી પ્રવાસને પગલે પક્ષના કામકાજ પર પ્રભાવ પડે છે. આવામાં મલ્લિકા અર્જુન ખડગેએ નાના પટોલેને પક્ષના નેતાઓને જાણ કર્યા વિના તેમના ગઢની યાત્રા તેમને ખલેલ ન પહોંચાડવા જણાવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકમાં રાજ્યના પ્રભારી એચ. કે. પાટિલને પદ પરથી હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી. કારણ કે તેઓ હવે કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી પાર્ટીની સરકારમાં મંત્રી છે. કોંગ્રેસનું કદ વિસ્તારવા માટેની રણનીતિ હેઠળ નિર્ણય કોંગ્રેસનું કદ વિસ્તારવા માટેની રણનીતિ હેઠળ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોંગ્રેસ આગમી સ્પ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરશે. તેમજ નવેમબર-ડિસેમ્બર મહિનામાં બસ યાત્રાનું આયોજન કરશે. જેમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. તો બેઠકમાં કેટલાક નેતાઓએ ભંડોળનો મુદ્દો ઉઠાવતા એવું નક્કી કરાયું કે તમામ વરિષ્ઠ નેતાઓને એક-એક સંસદીય ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવશે. ચાર ફોટોગ્રાફ અને કોલ રેકોર્ડ, પાંચ કેસમાં હાજરીના પુરાવાથી બ્રિજભૂષણ સિંહની મુશ્કેલીઓ વધી બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ છે. અમારું ફોક્સ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું કદ વધારવા અને મજબૂત કરવા પર છે. સાથે લોકોનો અવાજ બુલંદ કરવા પર અમારું ધ્યાન છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વધુમાં રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, અમે એ સુનિશ્વિત કરીશું કે, આ જનવિરોધી સરકાર હારી જાય. કોંગ્રેસની આ બેઠકમાં સુશીલ કુમાર શિંદે, અશોક ચૈહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, સંજય નિરૂપમ સહિત મિલિંદ દેવડા જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ચંદ્રયાન-ત્રણ મિશન ચૌદ જુલાઈના રોજ લોન્ચ થશે, શા માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવનું અન્વેષણ કરવા માંગે છે? જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-ત્રણ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ માટેનું વિશ્વનું પ્રથમ મિશન હશે. અગાઉના તમામ અવકાશયાન ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં થોડાક ડિગ્રી અક્ષાંશ પર ઉતર્યા છે. તે બે હજાર ઓગણીસના ચંદ્રયાન-બે મિશનનું ફોલો-અપ છે, જે તેના લેન્ડર અને રોવર ચંદ્ર પર સોફ્ટ-લેન્ડિંગ ન કરી શક્યા પછી આંશિક રીતે નિષ્ફળ ગયું હતું. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-ત્રણ તેના પ્રક્ષેપણના લગભગ એક મહિના પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી જશે અને તેનું લેન્ડર, વિક્રમ અને રોવર, પ્રજ્ઞાન ત્રેવીસ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, લેન્ડિંગ સાઇટ મિશન ચંદ્રયાન-બે જેવું જ છે. સીનતેર ડિગ્રી અક્ષાંશ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક. જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-ત્રણ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ માટેનું વિશ્વનું પ્રથમ મિશન બનશે. અગાઉના તમામ અવકાશયાન ચંદ્ર પર ઉતર્યા છે તે વિષુવવૃત્તીય પ્રદેશમાં, ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં થોડા ડિગ્રી અક્ષાંશ પર ઉતર્યા છે. વિષુવવૃત્ત પરથી કોઈપણ અવકાશયાન જે સૌથી દૂર ગયું છે તે સર્વેયર સાત હતું, જે નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે દસ જાન્યુઆરી, ઓગણીસો અળસાહિઠના રોજ ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.